કાર્યક્ષેત્રમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે. જીવનસાથીની સલાહ તમારા માટે ભાગ્યશાળી રહેશે. ભોજન પ્રત્યે બેદરકારી ન દાખવવી. કર્ક રાશિફળ: ગણેશજી કહે છે કે આજે લાંબા સમયથી ચાલતી કોઈપણ ચિંતા અને તાણમાંથી મુક્તિ મેળવો. તમે વીમા, રોકાણ વગેરે જેવી નાણાકીય પ્રવૃત્તિઓમાં પણ સામેલ થશો. મિલકતના વિવાદને ઉકેલવા માટે ઘરના વડીલની સલાહ લો. વર્તમાન આવક તેમજ ખર્ચ વધુ રહેશે. બિનજરૂરી ખર્ચ તમને પરેશાન કરી શકે છે. વિરોધીઓની હલચલને અવગણશો નહીં. કોઈ ખરાબ સમાચાર મળવાથી મન નિરાશ થશે. વ્યવસાયિક સ્પર્ધા તમારા કામ પર અસર કરી શકે છે. પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે. તમે તમારા સ્વાસ્થ્યની સુરક્ષા માટે એકદમ ગંભીર રહેશો. સિંહ રાશિફળ: ગણેશજી કહે છે કે કોઈપણ ધાર્મિક કાર્ય કરનાર વ્યક્તિની હાજરીમાં તમારા વિચારોમાં સકારાત્મક પરિવર્તન આવશે. જીવન સાથે જોડાયેલી દરેક ક્રિયાને યોગ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ પણ ઉત્તમ રહેશે. તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજો સાચવો જે તમારા આત્મસન્માન પર નકારાત્મક અસર કરી શકે છે. બાળકો સાથે થોડો સમય વિતાવો. દૈનિક આવકમાં વધારો થશે. હાલ પરિસ્થિતિ ફાયદાકારક બની રહી છે. લગ્નજીવન આનંદથી પસાર થશે. તમારો આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચાર તમને સ્વસ્થ રાખશે. કન્યા રાશિફળ: ગણેશજી કહે છે કે આજે ઘરના કોઈપણ વરિષ્ઠ વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. તેથી તેમાંથી કોઈપણને અવગણશો નહીં. મહિલાઓ માટે દિવસ ખૂબ જ ફળદાયી છે. કેટલીકવાર કેટલાક સંબંધીઓ પ્રત્યે નકારાત્મક વિચારો આવી શકે છે. તમારા મૂડ પર નિયંત્રણ રાખો. સંબંધીઓને ખરાબ થતા અટકાવો. તે જ સમયે, તમારી ક્ષમતાઓથી વધુ કામ કરવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર થશે. તમને વ્યવસાય સંબંધિત સ્પર્ધામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પતિ-પત્નીનું એકબીજા પ્રત્યે સહકારભર્યું વલણ એકબીજા સાથેના સંબંધોને મજબૂત બનાવશે. થાકને કારણે પગમાં દુખાવો અને સોજો રહેશે. તુલા રાશિફળ: ગણેશજી કહે છે કે છેલ્લા કેટલાક સમયથી તમારી નજીકના લોકો સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. એકબીજા સાથેના સંબંધો સારા રહેશે. પ્રિય મિત્રની સલાહથી આશાનું નવું કિરણ જાગશે. જો મિલકતના વિભાજનને લઈને વિવાદ ચાલી રહ્યા હોય, તો તેને મધ્યસ્થી કરીને ઉકેલવાનો પ્રયાસ કરો. આ સમયે તમારી માનસિક સ્થિતિને સકારાત્મક રાખવાનો પ્રયાસ કરો. સમજ્યા વિના કંઈ ન કરો. યુવા વર્ગ પ્રેમમાં પડતો નથી અને અભ્યાસ અને કારકિર્દી સાથે સમાધાન કરતો નથી. તેજી-બસ્ટ અને શેરબજારમાં રૂપિયાનું રોકાણ ન કરો. પરિવારના સભ્યો તમારી સમસ્યાઓને સમજશે. ઈર્જા થવાની સંભાવના છે. વૃશ્ચિક રાશિફળ: ગણેશ કહે છે કે સામાજિક સીમાઓ વધુ વિસ્તૃત થશે. આજે પણ તમે પારિવારિક કાર્યોમાં થોડા વ્યસ્ત રહેશો. ઘરના સભ્યોની સુખાકારીનું ધ્યાન રાખવાથી તેમને સુરક્ષાની ભાવના મળશે.